આયજીટીકે: તે ફક્ત કાળા લોકો જ નથી જેનો વિચિત્ર અનુભવ હતો ના મેળામાં. હેન્ડબુક માં વાજબી લોકોને જાણ એમજે: મહેરબાની કરીને યાદ રાખો. જેએમઆર: એકવાર તમે ગેટની અંદર આવશો, તમે શોનો ભાગ છો. એટ બફેલો માં આર્ક કરી રહ્યા છીએ પ્રેક્ષકોને પોતાને પૂછવાની મંજૂરી આપે છે, શું આપણે હજી પણ દરવાજાની અંદર છીએ અને શું આપણે બધા હજી પણ આ શોનો ભાગ છીએ? આપણે આ દિવસો વારંવાર સાંભળીએ છીએ કે ઇમિગ્રેશન સિસ્ટમ તૂટી ગઈ છે. હું આજે તે કેસ બનાવવા માંગું છું. અમારી ઇમિગ્રેશન વાતચીત તૂટી ગઈ છે અને કેટલીક રીતો સૂચવવા માટે, જે એક સાથે, અમે વધુ સારું બનાવી શકીએ. તે તે કરવા માટે, હું જાઉં છું કેટલાક નવા પ્રશ્નો સૂચવવા ઇમિગ્રેશન વિશે, યુનાઇટેડ સ્ટેટ્સ અને વિશ્વ, પ્રસ પ્રશ્નો કે જે સરહદો ખસેડી શકે છે ઇમિગ્રેશન ચર્ચા. હું તાવ સાથે શરૂ થવાની નથી અમારી પાસે હાલમાં દલીલ છે, જીવન અને સુખાકારી તરીકે પણ ઇમિગ્રન્ટ્સનું જોખમ મુકવામાં આવી રહ્યું છે. યુ. એસ. સરહદ પર અને તેનાથી પણ આગળ. હું શરૂ કરવા જઇ રહ્યો છું ગ્રેજ્યુએટ સ્કૂલમાં મારી સાથે ના મધ્યમાં ન્યુ જર્સીમાં, નિષ્ઠાપૂર્વક યુએસ ઇતિહાસ અભ્યાસ, જે હું હાલમાં શીખવું છું, વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાં પ્રો પ્રોફેસર તરીકે નેશવિલે, ટેનેસીમાં અને જ્યારે હું ભણતો ન હતો, ત ક્યારે ક્યારેક ટાળવા માટે મારો નિલંબ લખવું, મારા મિત્રો અને હું શહેરમાં જઇશ નિયોન-રંગીન ફ્લાયર્સને બહાર કા માટે, વિરોધ કાયદો તે લઈ જવા ધમકી આપી હતી. ઇમિગ્રન્ટ્સના અધિકારી. અમારા ફ્લાવર નિષ્ઠાવાન હતા, તેઓ સારા અર્થમાં હતા, તેઓ હકીકતમાં સચોટ હતા, પરંતુ મને ખ્યાલ છે હવે, તેઓ પણ હતા એક પ્રકારની સમસ્યા. તેઓએ શું કહ્યું તે અહીં છે: "ઇમિગ્રન્ટ રાઇટ્સ છીનવી ના લો જાહેર શિક્ષણ માટે, તબીબી સેવાઓ માટે, સામાજિક સુરક્ષા ચોખ્ખી. તેઓ સખત મહેનત કરે છે. તેઓ કર ચૂકવે છે. તેઓ કાયદાનું પાલન કરે છે. તેઓ સામાજિક સેવાઓનો ઉપયોગ કરે છે અમેરિકનો કરતા ઓછા. તેઓ અંગ્રેજી શીખવા માટે ઉત્સુક છે, અને તેમના બાળકો સેવા આપે છે સમગ્ર વિશ્વવાયુ. એસ. સૈન્યમાં. હવે, આ, અલબત્ત, દલીલો છે કે આપણે દરરોજ સાંભળીએ છીએ. ઇમિગ્રન્ટ્સ અને હિમાયતીઓ તેનો ઉપયોગ કરે છે જેમ- જેમ તેઓ મુકાબલો કરશે ઇમિગ્રન્ટ્સને તેમના હકનો ઇનકાર કરો અથવા તેમને સમાજમાંથી બાકાત રાખવું.અને એક ચોક્કસ મુદ્દા સુધી, તે સંપૂર્ણ અર્થમાં બનાવે છે કે આ દાવાઓનાં પ્રકારો હશે કે ઇમિગ્રન્ટ્સ ડિફેન્ડર્સ ચાલુ કરશે, પરંતુ લાંબા ગાળે અને કદાચ ટૂંકા ગાળામાં પણ, મને લાગે છે કે આ દલીલો પ્રતિકારક હોઈ શકે.